આપણે પરગ્રહ પર જીવીએ છીએ. અભ્યાસ માટે અહીં પૃથ્વી પર ઘણું વિચિત્ર જીવન છે, અને તે આપણા વિશ્વની ધાર પર રહે છે, આપણી દૃષ્ટિ અને આપણી સમજ થી. તે ધારમાંથી એક છે એન્ટાર્કટિકા. જ્યારે આપણે એન્ટાર્કટિકા વિશે વિચારીએ છીએ, આપણે વિચાર્યું છે કે જે ઉજ્જડ અને નિર્જીવ છે... થોડા પેન્ગ્વિન સિવાય. પરંતુ એન્ટાર્કટિકાને તેના બદલે જીવનના ધ્રુવીય ઓએસિસ તરીકે ઓળખવા જોઈએ, સંપૂર્ણપણે આકર્ષક એવા અસંખ્ય જીવોના યજમાનો. તો પછી શા માટે આપણે તેમને નવીનતમ પ્રકૃતિ દસ્તાવેજ પર જોયા નથી? સારું, તેઓ બરફ અને બરફની નીચે સંતાઈ રહ્યા છે. આપણા માટે વર્ચ્યુઅલ અદ્રશ્ય. તેઓ સુક્ષ્મજીવાણુઓ છે: નાના છોડ અને પ્રાણીઓ ગ્લેસિયર્સની અંદર જ રહે છે, સમુદ્ર બરફ નીચે અને સબગ્લેશિયલ તળાવોમાં તરે છે. અને તેઓ કોઈપણ મેગાફ્યુ કરતા ઓછા પ્રભાવશાળી નથી કે તમે પ્રકૃતિ દસ્તાવેજી માં જોવા માટે વાપરો છો. પરંતુ તમે લોકોને તે ન જોઈ શકે તેવું અન્વેષણ કરવા માટે કેવી રીતે દબાણ કરો છો? મેં એન્ટાર્કટિકામાં પાંચ સપ્તાહની મુસાફરીનું નેતૃત્વ કર્યું માઇક્રોબાયલ સ્કેલ પર અનિવાર્યપણે વન્યજીવન ફિલ્મ નિર્માતા બનવા માટે. એકસો પંચ્યાસી પાઉન્ડ ગિયર સાથે, હું લશ્કરી વિમાનમાં સવાર થયો અને ક્ષેત્રમાં માઇક્રોસ્કોપ લાવ્યો આ સૂક્ષ્મ એક્સ્ટ્રોફાઇલ્સને ફિલ્મી અને પરીક્ષણ કરવા માટે, જેથી આપણે નબળી સમજાયેલી ઇકોસિસ્ટમથી વધુ પરિચિત થઈ શકીએ કે આપણે પૃથ્વી પર જીવીએ છીએ. આ અદ્રશ્ય જીવોને ક્રિયામાં ફિલ્માવવા માટે, મારે જાણવું હતું કે તે ઘરે ક્યાં બોલાવે છે મારે બરફની નીચે સાહસ કરવાની જરૂર હતી. દર વર્ષે, દરિયાઈ બરફ એન્ટાર્કટિકાના આખા કદને લગભગ બમણો કરે છે. નવ ફૂટ જાડા બરફની નીચે ઝલક મેળવવા માટે, હું સમુદ્રના બરફમાં શામેલ એક લાંબી, ધાતુની નળી નીચે ગયો જીવનથી ભરેલા છુપાયેલા ઇકોસિસ્ટમના સાક્ષી બનવા માટે, જ્યારે દરિયાકાંઠે અને બરફની પ્રકાશિત છત વચ્ચે સસ્પેન્ડ કરવામાં આવે છે. બહારથી જોયું તે અહીં છે. તે એકદમ જાદુઈ હતો. કેટલાક વિવેચકો જે મને મળ્યાં છે તે બીજ ઝીંગા જેવી મોહક વસ્તુઓ છે અને ઘણા વધુ સુંદર, ભૌમિતિક ડાયટોમ. ત્યારબાદ હું સુકી ખીણોમાં છાવણી કરવા માટે દૂર ગયો થોડા અઠવાડિયા માટે. એન્ટાર્કટિકાનો અઠ્ઠાણું ટકા હિસ્સો બરફથી ઢંકાયેલ છે અને ડ્રાય વેલીઝ એ એન્ટાર્કટિકાનો સૌથી મોટો વિસ્તાર છે જ્યાં તમે ખરેખર જોઈ શકો છો ખંડ પોતે આ બધાના તળિયા જેવા દેખાય છે? બ્લડફોલ્સ પર બેક્ટેરિયાના નમૂના લીધાં, આયર્ન ઓકસાઈડને ઉત્તેજીત કરનાર સબગ્લેશિયલ તળાવની એક કુદરતી ઘટના તે એક દાયકા પહેલાં થોડાક વધારે સમય સુધી તદ્દન નિર્જીવ માનવામાં આવતો હતો. અને તેમાં ડ્રીલ કરવા માટે મેં એક ગ્લેશિયર વધાર્યો, અસંખ્ય, હાર્ડકોર વિવેચકો